સમકાલીન એલએ શહેરનું મારા બાળપણની અપેક્ષા સાથે મેળ ખાતું લગભગ કંઇ નથી , એક સુંદર મકાન સિવાય: ફ્રેન્ક ગેહરી દ્વારા રચાયેલ ડિઝની કોન્સર્ટ હોલ, મારા દરેક સમયના નાયકો. માં, મને એલ. એ. ફિલ્હાર્મોનિકનો કોલ આવ્યો જે સ્થાપન શોધી રહ્યો હતો પ્રખ્યાત સિમ્ફનીની સો વર્ષની વર્ષગાંઠ નિમિત્તે સહાય માટે. આ માટે, અમે પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું, "મકાન શીખી શકે છે? શું તે સ્વપ્ન જોઈ શકે છે? " આ પ્રશ્નનો જવાબ આપવા, અમે ફિલ માં રેકોર્ડ કરેલી દરેક વસ્તુને એકત્રિત કરવાનું નક્કી કર્યું. મશીન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને, આખો સંગ્રહ, સો વર્ષ પાછો ગયો, મકાન ની સપાટી પર ચિત્રણ બની, આ ભવિષ્યવાદી જાહેર અનુભવ પ્રાપ્ત કરવા માટે બેતાલીસ પ્રોજેક્ટર લોસ એન્જલસના મધ્યમાં , એલ. એ. ની "બ્લેડ રનર" ની એક પગલુ નજીક આવ્યા. જો કોઈ મકાન ક્યારેય સ્વપ્ન જોતું હોય, તે આ ક્ષણ હતી. હવે, હું તમને મશીન મગજમાં એક અંતિમ યાત્રા માટે આમંત્રિત કરું છું. હવે, આપણે ડેટા બ્રહ્માંડમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છીએ પાછલા ત્રીસ વર્ષથી પ્રત્યેક ના. તેનો અર્થ એ કે આ ડેટા સેટમાં ની વાતો શામેલ છે. તમે અહીં જોઈ રહ્યાં છો તે દરેક છબી તે વાટાઘાટોમાંથી અનન્ય ક્ષણો રજૂ કરે છે. તે યાદ કરવામાં સમર્થ થવું તે આશ્ચર્યજનક નહીં હોય? સ્ટેજ પર પૂછાતા બધા પ્રશ્નો? હું અહીં છું, અસંખ્ય મહાન વિચારકોના મગજમાં, તેમજ મશીન, વિવિધ લાગણીઓ સાથે વાતચીત કરી શીખવાના ઉદ્દેશોને આભારી છે યાદ, પૂછપરછ અને એક જ સમયે કલ્પના, મનની શક્તિનો વિસ્તરણ. મારા માટે, અહીં જ છે એકવીસ મી સદીમાં ખરેખર એઆઈ થવાનો અર્થ. તે આપણા હાથમાં છે, મનુષ્યને, શીખવા અને યાદ રાખવા માટે આ મનને તાલીમ આપવી આપણે ફક્ત જેનું સપનું જોઈ શકીએ છીએ. આભાર. "મને મારામાં લોકો મળી ગયા છે. " તેથી અંતમાં એબી લિંકન ગાયું. હું તે ગીતને મંત્ર તરીકે લઉં છું. "મને મારામાં લોકો મળી ગયા છે. " જોમામા જોન્સ મારામાંની એક વ્યક્તિ છે જેને હું એક માર્ગદર્શિકા તરીકે માનુ છું. તે મારો વૈકલ્પિક અહંકાર છે. હું થી તેના અભિનયમાં મૂર્તિમંત છું, અને તે આસપાસ આવે છે જ્યારે તેણી પાસે જાણવાની તક આપવા માટે થોડી સમજ હશે. આમૂલ પરિવર્તનના આ સમયે, તેના સંદેશ માટે પાત્ર બનીને મને આનંદ થયો. જોમામા જોન્સ: જો હું કહું તો શું તે ઠીક થઈ જશે... પરંતુ શું જો મેં તમને હજી નથી કહ્યું? મેં તમને જે કહ્યું હતું ત્યાં પરીક્ષણો છે તમારા ઉંડા ડરથી આગળ? જો હું તમને કહું તો તમે પડી જશો... નીચે, નીચે, નીચે? પણ જો મેં તમને કહ્યું કે તમે તમારી જાતને આશ્ચર્યચકિત કરશો? જો હું તમને કહું તો તમે પૂરતા બહાદુર બનશો? જો હું તમને કહું તો શું આપણે બધા તેનામાંથી પસાર થઈશું નહીં? પણ જો મેં તમને કહ્યું તે જ હોવું જોઈએ તેવું છે?